એમ કરછ પ્રવાસ અછત પુર્ણાહુતી બાઈટ કચ્છની પ્રજા નું ખમીર માત્ર દેશમાં જ નહીં બલ્ક વિદેશમાં જાણીતું છે અછત હોય કે પછી ભૂકંપ હોય આપત્તિને અવસર માં ફેરવવા માટે કચ્છી મા નવો નું ખમીર જાણીતું છે એવું આજે સંવેદનશીલ સરકાર ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિર અને તેરા તુજકો અર્પણ સમિતિના ઉપક્રમે યોજાયેલ ઐતિહાસિક મેઘલાડુ ઉત્સવ આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું મુખ્યમંત્રી એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષના દુષ્કાળ બાદ આજે સમગ્ર કચ્છમાં શ્રીકાર વરસાદ થયો છે ત્યારે કચ્છની ગૌચર જમીનમાં અને બની ના ઘાસિયા મેદાનમાં નવેસરથી ઘાસચારો ઉગાડવામાં આવશે આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિર અને તેરા તુજકો અર્પણ સમિતિના ઉપક્રમે મેઘલાડુ મહોત્સવમાં મુખ્યમંત્રી ની સાથે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય સાત માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમનસિંહ જાડેજા સંતોકબેન આરેઠીયા જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી સ્વામિનારાયણ મંદિરના મહંત પરમપૂજ્ય ધર્મનંદનદાસજી મહારાજતેરા તુજકો અર્પણ સમિતિ ના હિતેશ ખંડોલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા મુખ્યમંત્રી ઐતિહાસિક ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓગણિસ જેટલી સેવાભાવી અનેકવિધ સંસ્થાઓએ દુષ્કાળના મુકાબલામાં સરકાર ને સહયોગ આપ્યો છે તે બદલ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌને મેઘલાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ભુજ સહિત સમગ્ર જિલ્લામાંથી અને ખાસ કરીને પટેલ સપ્ટેમ્બર મહિનામાં કુપોષણ નાબુદી માસ તરીકે ઉજવશે હાલમાં દેશ માટે સૌથી મોટો પડકાર કુપોષણ છે ત્યારે પરિબળો જવાબદાર પરિબળો વગેરે બાબતો ને ધ્યાન માં રાખી કુપોષણ અટકાવવાની વધુમાં વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવશે ચિદમ્બરમની કસ્ટડી સત્તર ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે ના વડા શરદ પવારની હાજરીમાં જીતેન્દ્ર ઔહાડે મુંબઇની કલવા બેઠક માટે ઉમેદવારી નોંધાવી ડોંબવલી બેઠક પર ભાજપના રવીન્દ્ર ચવાણે તથા થાણે બેઠક પરથી ભાજપના સંજ કેળકરે ઉમેદવારી નોંધાવી છે રેલવે મંત્રી પિયુષ ગોયલ આ પ્રસંગે ઉપસ્થિત તેમણે કહ્યું કે પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં સમગ્ર દેશ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાંકળી લેવાશે જમ્મુમાં શેરે કાશમીર ભવન ખાતે પક્ષના વરિષ્ઠ નેતાઓની મળેલી બેઠકમાં રાજકીય સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કૌમી સંવાદીતા ભાઈચારો એકતા જાળવવા પ્રતિજ્ઞા લીધી હતી પ્રથમ વાણીજયીક ટ્રેન આ મહિનાની પાંચમી તારીખે શરૂ થશે અને તેની ટીકીટનું બુકીંગ આઇ નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાસવાને કહ્યું કે હાલ છપ્પન હજાર ટનનો બફર સ્ટોક છે અને તેમાંથી અઢાર હજાર ટન ડુંગળીનો નિકાલ કરાયો છે પંકજા મુંડે ગીરીશ મહાજન સુરેશ ખાડે અને સુભાષ દેશમુખ સહિત ઘણા હાલના ઘારાસભ્યો પણ ઉમેદવારીપત્રો ભર્યા છે તે જ દિવસે પાછા વળતા ટ્રેન નંબર બાવીસ હજાર ચાર સો ચાલીસ કટરાનવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ કટરા રેલવે સ્ટેશનથી બપોરે ત્રણ વાગે ઉપડશે અને નવી દિલ્હી રેલવે સ્ટેશને રાત્રે અગિયાર વાગે પહોંચશે વડી દાલતની ટીકાના પગલે રાજ્ય સરકારે જાહેરમાં બેનર લગાવવા પ્રતિબંધ ફરમાવ્યો છે એક એજીનીયર પર બેનર પડવાની દુર્ધટનાને પગલે આ નિર્ણય આપ્યો હતો.